તમારામાંથી કેટલા પાસે પુસ્તક છે? બહુ ઓછા, ખરું ને? આ જ દૃશ્ય મને દર વખતે જોવા મળતું હતું, જ્યારે પણ હું મારી ઓફિસના બ્લોકની બહાર નીકળતી હતી. હું લગભગ વીસ વ્યાવસાયિકોથી ઘેરાઈ જતી હતી, જેઓ પોતાના ફોન સાથે ચોંટેલા રહેતા હતા. અને એક પણ વ્યક્તિના હાથમાં પુસ્તક ન હતું. અને આ વાત મને ખૂબ, હતાશ કરતી હતી. હું હંમેશાથી એક પુસ્તકી કીડો રહી છું. પુસ્તકોએ મારા જીવનના લક્ષ્યો નક્કી કરવામાં મદદ કરી છે. શ્રી ડાર્સી મારો પ્રથમ પ્રેમ હતો. જ્યારે હું એકવીસ વર્ષની હતી, ત્યારે મેં પહેલી વાર હેરી પોટર વાંચ્યું , કોલેજના ઉનાળાના વિરામ દરમિયાન. અને મને યાદ છે કે મારા વીસના દાયકાના મધ્યમાં મેં ગર્વથી ખરીદેલા નાના ફ્લેટમાં પહેલી રાત મેં ધ દા વિન્સી કોડ વાંચવામાં વિતાવેલી હતી. અને હવે હું એક ભયંકર નિવેદન આપીશ: આજે પણ જ્યારે હું ઉદાસ હોઉં છું, ત્યારે હું વૉર એન્ડ પીસ લઈને સૂઈ જાઉં છું. હસ્સો ,હસશો નહીં. પરંતુ હું પણ મારા આસપાસના લોકો જેવી જ હતી. હું પણ મારા ફોન પર જીવતી હતી. મેં મારી કરિયાણાની ખરીદી ઓનલાઈન કરી અને આ રીતે મારી એપ્લિકેશનને ખબર પડી કે મને દર મહિને કેટલા ડાયપરની જરૂર પડતી હતી. મેં મારા ફોન પર સિનેમાની ટિકિટો બુક કરી છે. મેં મારા ફોન પર વિમાની ટિકિટો બુક કરી. ઘરે પરત ફરતી વખતે, જ્યારે હું ટ્રાફિકમાં ફસાઈ જતી હતી, ત્યારે મોટાભાગના શહેરી ભારતીયોની જેમ હું વોટ્સએપ પર સમય પસાર કરતી હતી અને મારા ટ્વિન બાળકો સાથે વિડિયો ચેટ કરતી હતી. હું ભારતમાં થઈ રહેલી એક અસાધારણ ક્રાંતિનો ભાગ હતી. વિશ્વમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરનારા લોકોની સંખ્યાની દૃષ્ટિએ ભારત બીજા ક્રમે છે. અને ડેટાના ભાવમાં એટલો ધરખમ ઘટાડો થયો છે કે ભારતના અડધાથી વધુ લોકો અને ગ્રામીણ ભારતના એક મોટા હિસ્સાના લોકોના હાથમાં હવે ડેટા કનેક્શન ધરાવતો સ્માર્ટફોન છે. અને જો તમે ભારત વિશે થોડું પણ જાણતા હશો, તો અડધો એટલે કેટલું મોટું પ્રમાણ છે તે તમે સમજી શકો છો. તે લગભગ આખા અમેરિકા જેટલી વસ્તી છે. તમે જાણો છો, આ ખરેખર મોટી સંખ્યા છે. અને આ સંખ્યાઓ સતત વધી રહી છે, વિસ્તરી, વિસ્તરી રહી છે અને ઝડપથી વધી રહી છે. તેઓ જાણે વિસ્ફોટ કરી રહી છે. અને ભારતીયો તમામ પ્રકારની અસાધારણ રીતે અશક્ય બની રહ્યા છે. અને પછી મેં મારી વૈભવી ઓફિસ છોડી દીધી. મેં ભારતની એક જાણીતી પ્રકાશન સંસ્થાની નોકરી છોડી અને પોતાની કંપની શરૂ કરી. હું દિલ્હીના એક સસ્તા બોહેમિયન વિસ્તારમાં એક મોટા ઓરડામાં નાની ટીમ સાથે ગઈ. અને ત્યાં મેં એક નવા પ્રકારનું પ્રકાશન ગૃહ સ્થાપ્યું. એક નવા પ્રકારના પ્રકાશન ગૃહને નવા પ્રકારના વાચનની જરૂર હતી.